તમે દિવાલોને ઢાંકવા અને રસદાર પૃષ્ઠભૂમિ બનાવવા માટે છોડનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક રીતે તમારી જગ્યાને આકર્ષક વાઇબ આપવા માટે હેંગિંગ પ્લાન્ટ્સ પસંદ કરવાનું પણ એક સારો વિકલ્પ છે. તમારા પેશિયોમાં છોડનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ આઉટડોર ડેક આઈડિયા છે. ફોલ્સ સિલિંગ લાઇટ્સ પસંદ કરવા માટેની ટિપ્સ, સરળ ઘર સજાવટના વિચારો, નવીનતમ છબીઓ સાથે એપાર્ટમેન્ટ્સ માટે અમેઝિંગ બાલ્કની ડિઝાઇન વિચારો, વોલ ટાઇલ ડિઝાઇન આઇડિયાઝ અનન્ય દેખાવ માટે, છબીઓ સાથે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ ડિઝાઇન વિચારો, સ્ટાઇલિશ ઘર માટે પ્રકારના ડાઇનિંગ ટેબલ, તમારા ઘર માટે આયર્ન અલ્મિરાહ ડિઝાઇન વિચારો, ઘરના પરંપરાગત દેખાવ માટે લાકડાના મુખ્ય દરવાજાની ડિઝાઇન, તમારી રાશિ પ્રમાણે તમારી આંતરિક ડિઝાઇનની શૈલી જાણો,લાઇટિંગ સાથે બોલ્ડ સ્ટેટમેન્ટ આપો. સૂર્ય અસ્ત થયા પછી પણ તમારા પેશિયોની સુંદરતાનો આનંદ માણવા માટે સારી લાઇટિંગ આવશ્યક છે. ત્યાં ઘણી લાઇટિંગ ડિઝાઇન છે જેનો તમે તમારા સ્વાદના આધારે પ્રયોગ કરી શકો છો.સ્ટે સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટનો ઉપયોગ કરવો એક સરસ વિચાર છે જે વાતચીતના ક્ષેત્ર પર ચમકે છે. અથવા તમે તમારી બહારની જગ્યાને પરિવર્તિત કરવા માટે ફેસ્ટૂન લાઇટ્સ અથવા ટ્વિંકલી લાઇટ્સના સેટનો ઉપયોગ કરી શકો છો. આજકાલ, સૌર સૌર-સંચાલિત પ્રકાશ વિકલ્પો પણ પૃષ્ઠકુળ ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાતો અને પસંદગીઓના આધારે એક પસંદ કરવાનું વિચારો. ઇકોફ્રેન્ડલી રતન પેન્ડન્ટ લેમ્પનો ઉપયોગ કરવો એક આદર્શ આઉટડોર ડેકોર છે. એક સુંદર પેશિયો છત્રી ઉમેરો ઉનાળાના તે ગરમ દિવસોથી રક્ષણ આપવા માટે. કોઈ પણ પેશિયોની સજાવટ અમુક શેડ વિના પૂર્ણ થઈ શકે નહીં. અને તે હાંસલ કરવા માટે એક સુંદર પેશિયો છત્રનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માર્ગ છે. તમારા બેકયાર્ડની રંગ યોજના સાથે મેળ ખાતી છત્રીનો રંગ પસંદ કરો. તમે વિરોધાભાસ માટે પણ જઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી બેઠક તટસ્થ ટોનમાં હોય, તો તમે જગ્યાને તેજસ્વી કરવા માટે તેજસ્વી છત્ર પસંદ કરી શકો છો. તમારા આઉટડોર સરંજામને નવા સ્તરે લઈ જવા માટે સુંદર રીતે મેળ ખાતી પેશિયો છત્રી પોપ્સ ઓફ કલર ઉમેરો. તટસ્થ ટોન શાંત છે પરંતુ રંગનો પોપ વસ્તુઓને તાજી અને રસપ્રદ રાખવામાં મદદ કરે છે. તમારી સેટિંગને વધુ સારી બનાવવા માટે બ્લૂઝ, ગ્રીન્સ, રેડ્સ અથવા કદાચ નિયોન્સના તેજસ્વી પૉપ્સ ઉમેરો. તમારા કુદરતી બેકડ્રોપ્સને તેમની સુંદરતા પર ભાર મૂક્યા વિના પૂરક બનાવશે. સ્વાગત વાતાવરણ બનાવવા માટે તમે કેટલાક તેજસ્વી રંગના કુશન અને થ્રોસટનો સમાવેશ કરી શકો છો. તમારી આઉટડોર સજાવટને વધુ સુંદર બનાવવા માટે તેજસ્વી રંગીન કુશનનો ઉપયોગ કરો. આઉટડોર રગ સાથે ઊંડાઈ ઉમેરો.